બેહજાર સોળ માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને તેને વધુ કડક બનાવાયા પછી આ કાયદા હેઠળ સલ્લાની દોષિત તરીકેની આ પ્રકારની પ્રથમ સજા હતી. તેણે કથિત રીતે ફ્લાઇટના બાથરૂમમાં નકલી હાઇજેક નોટ લગાવી હતી અને એ દાવો કર્યો હતો કે, એ એવી આશામાં હતો કે તે જેટ એરવેઝને મજબૂર કરશે. જેમાં જેટ એરવેઝ દિલ્હીની કામગીરી બંધ કરે અને સલ્લાની ગર્લફ્રેન્ડ, જે એરલાઇનની દિલ્હી ઓફિસમાં કામ કરતી હતી, તે મુંબઈ પરત આવી જાય. આ નોટના કારણે ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કોર્ટે સલ્લા વિરુદ્ધ રૂપિયા પચાસઃ હજાર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં કામ કરતા બે ક્રૂ મેમ્બર્સ અને બોર્ડ પરના એકસો પંદર મુસાફરોને દરેકને પચીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ એમઆર મેંગેડેની ડિવિઝન બેન્ચે સલ્લાને દોષિત હોવાને પલટી અને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલી સજા વિરુદ્ધ સલ્લાની અપીલને મંજૂરી આપતી વખતે, ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા દંડને પણ બાજુ પર રાખ્યો અને નિર્દેશ આપ્યો કે, પાંચ કરોડ રૂપિયાની રકમ પરત કરવામાં આવે. અદાલતે ફ્લાઇટના ક્રૂ સભ્યોને ટ્રાયલ કોર્ટના નિર્દેશો મુજબ ચૂકવણી કરવાની સ્થિતિમાં વળતર પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને વૈકલ્પિક રીતે, બેન્ચે રાજ્યને નિર્દેશ આપ્યો કે, તે ક્રુ સભ્યોને ચૂકવણી કરવામાં આવેલી રકમની ચૂકવણી કરે, અને તે ખુલ્લું રહે. એટલે કે, રાજ્યને ક્રૂ મેમ્બરો પાસેથી રકમ વસૂલવા માટે કહેવામાં આવ્યું હતું. ખંડપીઠે એ પણ નિર્દેશ આપ્યો હતો કે, તપાસ અધિકારી દ્વારા અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલી મિલકતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ પણ વાંચો , જીવિત અને સ્વસ્થ્ય મહિલાને વડોદરામાં મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું, તપાસમાં સામે આવ્યો ગજબ સંયોગ. સલ્લા પર કલમ ત્રણ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો, જે કોઈ ગેરકાયદેસર અને જાણીજોઈને બળ અથવા ધમકી, અથવા બળજબરી, અથવા અન્ય કોઈપણ પ્રકારની ધાકધમકી દ્વારા, અથવા કોઈપણ તકનીકી માધ્યમથી, વિમાનને કબજે અથવા નિયંત્રણ કરે છે, તો તે અપહરણનો ગુનો કરે છે. આવો ગુનો કરવાની ધમકી આપે છે, અને કલમ ચાર હેઠળ શિક્ષાપાત્ર છે આજીવન કેદ સાથે જેનો અર્થ તે વ્યક્તિની કુદરતી આજીવન કેદની બાકીની કેદ અને દંડ, અને અને સુધારેલા અપહરણ વિરોધી અધિનિયમ, હેઠળ આવી વ્યક્તિની સ્થાવર, જંગમ મિલકત પણ જપ્ત કરવા માટે જવાબદાર છે. નેવિલ રોય સિંઘમ કોણ છે, જે ચીન પાસેથી પૈસા લઇ ભારતને કરે છે બદનામ. ન્યૂયોર્ક ટાઈમ્સે એક રિપોર્ટમાં ન્યૂઝ ક્લિકને ચીન ફંડિંગ આપી રહ્યુ હોવાનો ખુલાસો કર્યો છે, જે ભારત અને પીએમ નરેન્દ્ર મોદી વિરુ્ધ અને ચીનની તરફેણમાં માહોલ ઉભો કરે છે અમેરિકાના ઉદ્યોગપતિ નેવિલ